થોડા સમય બાદ તેના પતિએ તેને છોડી દીધી અને લોન વસૂલવા માટે શાહુકારો તેના ઘરના ચક્કર લગાવવા લાગ્યા. ઘરેલુ નોકર બનીને ચોરીની શરૂઆત કરી, પૈસા કમાવા સિવાય કોઈ વિકલ્પ ન હતો, કેમ્પમ્માએ ઘરેલુ કામવાળી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આનાથી તેને લોકોના ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરવામાં મદદ મળી. એકવાર બિદાદી પોલીસે તેને ચોરીના કેસમાં પકડી અને તેને છ મહિના જેલમાં રહેવું પડ્યું. બાદમાં તેણે થોડા દિવસો સોની કામ કરતા લોકો સાથે કામ કર્યું અને સૌપ્રથમ તેને સાયનાઈડનો પરિચય થયો. તે એક અત્યંત ઝેરી રસાયણ હતું, જેનો તેણે આખરે લોકોની હત્યા કરવા ઉપયોગ કરવાનું શરૂ કર્યું. સુવર્ણકારો સોનાનો ઢોળ ચઢાવવા ઉપરાંત, સોનાને કાઢવા અને પોલિશ કરવા માટે સાયનાઇડનો ઉપયોગ કરે છે. કેમ્પમ્માએ પાછળથી નોકરી છોડી દીધી કારણ કે, તેણીને અપેક્ષિત વેતન મળતું ન હતું. પ્રસાદમાં પવિત્ર જળ અને પછી મૃત્યુ. નોકરી છોડી દીધા બાદ, કેમ્પમ્માએ શ્રીમંત બનવાની યોજનાઓ બનાવવાનું બંધ કર્યું નહીં. તેણીએ પૂર્વ આયોજિત દિનચર્યાનું પાલન કર્યું. તે દરરોજ મંદિરમાં જતી અને એવા લોકોને જોતી કે જેઓ દુઃખી જણાતા હોય. તેણે પોતાની જાતને એક દૈવી વ્યક્તિ તરીકે સ્થાપિત કરી, તે પહેલાં માત્ર તે સમયની બાબત હતી. પીડિતોને દિલાસો આપ્યો અને 'મંડલા પૂજા' નામની વિશેષ વિધિ દ્વારા તેમની મુશ્કેલીઓનું નિરાકરણ કરવાનું વચન આપ્યું. તે પૂજા સમયે મહિલાઓને સૌથી મોંઘા વસ્ત્રો પહેરવા અને ધાર્મિક વિધિના ભાગરૂપે પોતાને ઘરેણાંથી શણગારવા કહેતી હતી. પ્રસાદમાં સાયનાઈડ ભેળવી પ્રસાદ ખવડાવવાની મોડસ ઓપરેન્ડી તે પીડિત મહિલાઓને શહેરથી દુર કોઈ અજાણ્યા મંદિરમાં આમંત્રિત કરતી, પહેલા કેમ્પમ્મા તેમને તેમની આંખો બંધ કરીને પ્રાર્થના કરવાની સૂચના આપતી. તે મહિલાઓને ક્યાં ખબર હતી કે વિશ્વાસ અને આસ્થા તેમની છેલ્લી છે. પછી તે તેમને "પવિત્ર પાણી" અથવા સાઇનાઇડથી યુક્ત પ્રસાદ પીરસતી. નિવૃત્ત પોલીસકર્મી ઉમેશ કહે છે કે, આ તેની મોડસ ઓપરેન્ડી બની ગઈ હતી. બેંગલુરુના એક પોલીસકર્મીએ પીછો કર્યો અને કોર્ટ કઠેડે લાવી ઓગણીસસો અઠ્ઠાનુંમાં કેમ્પમ્માએ ત્રીસ વર્ષની શ્રીમંત મહિલા મમતા રાજનને નિશાન બનાવી હતી. આ તેની પ્રથમ હત્યા હોવાનું માનવામાં આવે છે. તેના મોટા ભાગના શિકાર, વૃદ્ધો અથવા મુશ્કેલ સંજોગોમાંના રહેતા લોકો હતા. એક અસ્થમા પીડિત અથવા ઓગણસાઠ વર્ષીય મહિલા કે જે તેના ગુમ થયેલા પુત્રને શોધવાની ઝંખના કરે છે, અથવા રાહત માંગતી મહિલા. દરેક હત્યા પછી, કેમ્પમ્મા કોઈને શંકા ન જાય તે માટે તરત જ તેની ઓળખ બદલી નાખતી. લાલચને કારણે ખતરનાક ગુનેગાર બી, હત્યાઓનો કોઈ પસ્તાવો નહોતો, કીમતી ચીજવસ્તુઓની ચોરી કરવા બદલ તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને છ મહિના